મારાં જિજ્ઞાસુ મનમાં આ પ્રશ્નનો કીડો વર્ષો સુધી હતો પણ કદાચ હવે નથી. ઘણાં લોકો જે હિંદુ ધર્મમાં છે એ પણ આ પ્રશ્ન વિશે મજાક ઉડાવતા હોય છે પણ એ પણ વિચારવાનું કે હિન્દુ ધર્મ સહિત તમામ ધર્મો એમ કહેતા હોય કે ભગવાન એક છે તો પછી આ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ક્યાંથી આવ્યા? સીધો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ જેનો સંદર્ભ ઋષિઓ લખેલાં પુરાણોમાંથી મળે છે. જેમ મુસ્લિમ ધર્મમાં પવિત્ર કુરાનનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ હદીસ નું છે, ખ્રિસ્તી ધર્મમાં પવિત્ર બાઇબલ જેટલું મહત્વનું, તેટલું જ મહત્વ ગોસ્પેલનું છે. તેવી જ રીતે હિન્દુ ધર્મમાં પવિત્ર રામાયણ મહાભારત ના ગ્રંથો સિવાય પુરાણોનું મહત્વ પણ એટલું જ છે. જ્યારે હિંદુ ધર્મમાં દેવતાઓ વિશે કોઈ ચર્ચા થાય છે ત્યારે નંબર તેત્રીસ કોટી સતત સંભળાય છે. હિન્દુ ધર્મના સૌથી પવિત્ર સ્થળો પર મુલાકાત લો અને આખી પૃથ્વી ઉપર ફરી વાળો તો પણ તમને તેત્રીસ કરોડ તો નહીં પણ કદાચ તેત્રીસ જુદા જુદા દેવતાઓના મંદિર મળશે પણ ત્રણસો તેત્રીસ દેવતાઓ ના મંદિર મળવા મુશ્કેલ થઈ જશે. તો પછી આ તેત્રીસ કરોડ નો આંકડો આવ્યો ક્યાંથી? ઘણા લોકો એ ભૂલી જાય છે કે હિન્દુ ધર્મમાં ભગવાન એ આકારે સહિત છે નિરાકાર ભગવાનમાં હિન્દુ માનતો નથી અને એ ઉપરાંત હિન્દુ ધર્મમાં ઘણા દેવતાઓમાં પ્રતિકાત્મક સ્વરૂપ વર્ણન છે એનો અર્થ એ કે ઘણા બધા સૃષ્ટિના પ્રતિકોને દેવતાઓ તરીકે ગણવામાં આવે છે. હું ફકત હિંદુ ધર્મની જ વાત કરું છું, કારણ કે મને મારા ધર્મ વિશે આટલું જ્ઞાન તો હોવું જોઈએ એવું દ્રઢપણે માનું છું. પણ મારી આ માન્યતા બીજા ધર્મના કોઈક બીજા કન્સેપ્ટને ઢાંકી દેવાનું કે તેમને નીચા દેખાડવાનો નથી. તેત્રીસ કરોડ દેવતાઓ એટલે ભગવાન નહી. દેવતાઓ એટલે ભગવાન જેવા, પણ ભગવાન સમકક્ષ નહી. ભગવાન દરેક ધર્મમાં કીધું છે તેમ એક જ હોય પણ ભગવાને સમગ્ર સૃષ્ટિ ચલાવવા માટે જે જુદા જુદા પ્રતિનિધિત્વ સોંપ્યા છે તેને દેવતા ગણવામાં આવે છે. હવે અગાઉ કહ્યું તેમ હિંદુ ધર્મમાં પ્રતીકવાદનું મહત્ત્વ એ રીતનું હતું કે ભગવાનની શક્તિને ઓળખનાર તથા તેમની પ્રસન્નતા માટે તેમની સાધના કરનાર દરેકને ભગવાનના પ્રતિનિધિત્વ એટલે કે પ્રતિક તરીકે દેવતા ગણવામાં આવતા. જે કામનાં તફાવતોને કારણે વિવિધ નામો, સ્વરૂપો, વિશેષ પ્રવૃત્તિઓ, વિશેષ લક્ષણો અને વિશેષ શક્તિઓ ધરાવે છે તે બધા સજીવ અને નિર્જીવ અને જે હજુ સુધી દેખાયા છે, તે બ્રહ્મના અભિવ્યક્તિ તરીકે દેખાતા દેવતાઓ ગણાયા. યાજ્ઞવલ્ક્ય નામનાં ઋષિએ બૃહદારણ્યક ઉપનિષદ લખ્યું છે તેમાં આ તેત્રીસ કોટી દેવતાઓની વાત સમજાવી છે અને ત્રીજા શ્લો